કન્ટેઈનમેન્ટ ઝોનમાં ચૂસ્ત નિયંત્રણ જાળવવામાં આવશે અને માત્ર આવશ્યક પ્રવૃત્તિઓને જ મંજૂરી આપવામાં આવશે સમગ્ર રાજ્યમાં રાતના નવ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરાશે રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ અને રોજિંદા જીવન વ્યવહારની પ્રવૃત્તિઓને કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે શ્રી મોદીએ કહયું કે કોરોના સામેની લડત દ્વારા દેશની જનતાએ સાબિત કર્યું છે કે ભારતીયોની સામુહિક શકિત અને ક્ષમતા વિશ્વના તાકાત વાન અને સંપન્ન દેશોની સરખામણીએ ઘણી વધુ છે નવી માર્ગદર્શિકા મુજબ હવેથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પાસ કઢાવવાની જરૂર નથી રાજ્યમાં ગઈકાલે વધુ ચાર સો એકવીસ નવા દર્દીઓ નોંધાયા છે પચાસ કરોડથી વધુ પશુધનનું વિના મુલ્ય રશીકરણ કરાયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા નાગરિકો સાથે સંવાદ કરશે કિસાન સન્માન નિધિ અંતર્ગત એક વર્ષમાં નવ કરોડ પચાસ લાખથી વધુ ખેડુતોના ખાતામાં બોતેર હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરાવાઇ છે કન્ટેઈમેન્ટ ઝોન સિવાય વિસ્તારમાં સવારના આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી વેપારધંધા રોજગાર ચાલુ રાખી શકાશે જ્યારે બીજા તબક્કામાં શાળાઓ કોલેજો શૈક્ષણિક તાલીમ અને કોચિંગ સંસ્થાઓ વગેરે માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વિચાર વિમર્શ કર્યા પછી ફરી ખોલવા માટે મંજૂરી આપવામાં આવશે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત દસ ગંભીર રોગો જેવાકે ઝેરી કમળો બાળ ટી પોલીયો ડીશેરીયા ઊટાટીયું ધનુર હીબ બેક્ટરિયાથી થતા રોગો રોટા વાયરસથી થતા ઝાડા ઓરી અને રૂબેલા સામે રક્ષણ પૂરુ પાડનાર રસી સગર્ભા માતા અને બાળકોને આપવામાં આવે છે તેમણે કહયું કે આટલા મોટા સંકટ સમયે આપણા મજુરો શ્રમિકો લઘુ ઉદ્યોગોના કામદારો સહિત ઘણા લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડયો છે પરંતુ ભારતે કોરોના સામેની લડતમાં જે રીતે એકતા અને પ્રતિબધ્ધતા બતાવી છે તે જ રીતે આર્થિક પુનો દ્વારનું પણ ઉદાહરણ ભારત પૂરૂ પાડશે આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારે આવતીકાલથી કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સવાર આઠથી સાંજના સાત વાગ્યા સુધી વેપાર ધંધા ઓફિસો ચાલુ કરવાની મંજૂરી આપી આ રસીકરણ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગંભીર બીમારી સામે માતા તેમજ બાળકને રક્ષણ પૂરું પાડવાનો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય માટે જાહેર કરેલી માર્ગદર્શિકાનો અમલ આવતીકાલથી રાજ્યોમાં કરાશે વીસ અગિયાર રાજ્યવ્યાપી રસીકરણ કોરોના વાયરસની મહામારી વચ્ચે અડગ અને અવિરતપણે કાર્યરત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યવ્યાપી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે સમગ્ર રાજ્યમાં એસટી બસો સેવાનો કાલથી પ્રારંભ થશે અરબી સમુદ્રમાં હવાના સર્જાયેલા હળવા દબાણને કારણે રાજ્યના કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના ઉપરાંત સામાજિક રાજકીય રમત ગમત મનોરંજન શૈક્ષણિક સાંસ્કૃતિક ધાર્મિક કાર્યો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય તેવી પ્રવૃત્તિઓ માટે પરિસ્થિતિનું આકલન કર્યા પછી ત્રીજા તબક્કામાં તેની જાહેરાત કરવામાં આવશે।